માતૃભારતી ટેક્નૉલોજિઝ પ્રાઇવેટ લિમિટેડ તમારી ગોપનીયતાને ખૂબ જ ગંભીરતાથી લે છે. આ ગોપનીયતા નીતિનો ઉદ્દેશ્ય આપને એ સૂચિત કરવાનો છે કે તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારીનો ઉપયોગ કઈ રીતે થઇ શકે છે, કઈ રીતે તમે તમારી જાણકારીની માત્રને નિયંત્રિત કરી શકો છો, અને તમારી જાણકારી કઈ રીતે સંરક્ષિત છે. કાર્યક્ષેત્ર આ ગોપનીયતા નીતિ માત્ર અમારી વેબસાઈટ પર જ લાગુ થાય છે. કોઈ અન્ય વેબસાઈટના માધ્યમ દ્વારા એકત્ર કરવાના આવેલી જાણકારી અથવા તો માતૃભારતી ટેક્નૉલોજિઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિયંત્રિત ન હોય તેવી અન્ય કોઈ કંપની પર આ ગોપનીયતા નીતિ લાગુ થતી નથી. જેમ કે, તમે અમારી વેબસાઈટ પર કોઈ વિજ્ઞાપન પર ક્લિક કરો છો અને અન્ય કોઈ વેબસાઈટ પર પહોંચો છો તો આ ગોપનીયતા નીતિ તે વેબસાઈટ પર એકત્ર કરવામાં આવેલ કોઈ પણ માહિતી પર લાગુ થતી નથી. અમે અન્ય વેબસાઈટોની ગોપનીયતા નીતી માટે કોઈ પણ પ્રકારે જવાબદાર નથી અને અમે સલાહ આપીએ છીએ કે તમે જે કોઈ પણ વેબસાઈટની મુલાકાત લો ત્યારે તેની ગોપનીયતા નીતિ અવશ્ય ચકાસો. વેબસાઈટ કઈ માહિતી એકત્ર કરે છે? એ જાણકારી જે તમે અમને પ્રત્યક્ષરૂપે આપો છો. વેબસાઈટની મુલાકાત લેવા માટે તમારે અમને પ્રત્યક્ષરૂપે કોઈ પ્રકારની માહિતી આપવાની જરૂરિયાત નથી. જો કે તમે વેબસાઈટ કોઈ નિશ્ચિત ફંક્શનનો ઉપયોગ કરો છો, જેમ કે કોઈ સેવા માટે રજિસ્ટ્રેશન કરો છો, કોઈ કન્ટેન્ટ અથવા સેવાનો ઉપયોગ કરો છો અથવા પ્રત્યક્ષ રૂપથી વેબસાઈટનો સંપર્ક કરો છો તો અમે નીચે આપેલી જાણકારી તમારી પાસેથી માંગી શકીએ છીએ. નામ, ઈમેલ એડ્રેસ, પોસ્ટલ એડ્રેસ. ફોન નંબર અથવા મોબાઈલ નંબર જેવી તમારી વ્યક્તિગત જાણકારી. યુઝરનેમ અને પાસવર્ડ કમ્યુનિટી ચર્ચાઓ અને અન્ય ઓનલાઈન પ્લૅટફોર્મ પર પોસ્ટ કરવામાં આવેલી જાણકારી વેબસાઈટ પર કરવામાં આવેલી સર્ચ ક્વેરીઝ તમારા દ્વારા વ્યક્તિગત રીતે મોકલવામાં આવેલ પત્રો જયારે તમે વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે વેબસાઈટ દ્વારા સ્વતઃ એકત્ર કરવામાં આવતી જાણકારી જયારે તમે વેબસાઈટ જુઓ છો ત્યારે નીચે આપેલ જાણકારી વેબસાઈટ સ્વતઃ એકત્રિત કરે છે: તમારા કમ્પ્યુટરનું ઈન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ તમારા ઈન્ટરનેટ બ્રાઉઝરનો પ્રકાર અને ઓપરેટીંગ સિસ્ટમ અમારી વેબસાઈટ પર આવ્યાના તુરંત પહેલા અને પછી તમારા દ્વારા જોવામાં આવેલ વેબપેજીસની જાણકારી કમ્યુનિટી ચર્ચાઓમાં થયેલ ગતિવિધિઓ તમારા બેન્ડવિથની ઝડપ અને તમારા કમ્પ્યુટરમાં ઉપસ્થિત તમામ સોફ્ટવેરની જાણકારી ઈમેલ ક્લિક-થ્રુ દર અને યુઝર્સ વિડીયો વ્યુઈંગની તમામ માહિતી સામાન્ય સારવાર લોગની જાણકારી એચ. ટી. એમ. એલ કૂકીઝ, ફ્લેશ કૂકીઝ, વેબ કૂકીઝ અને આવી અન્ય ટેક્નૉલોજિ દ્વારા એકત્રિત કરવામાં આવેલ જાણકારી અન્ય સ્ત્રોતો દ્વારા એકત્રિત કરવામાં આવેલ જાણકારી અમે થર્ડ